બધાને જાણકારી ન હોવાથી તે લોકો આ ઓપ્શનને હંમેશા ઓટો મોડમાં જ રાખે છે. જો મિત્રો તમે આવું કરશો તો હંમેશા તમારે બેટરીનો વપરાશ છે તે વધતો રહેશે કારણ કે તમારું સેન્સર તમારા આજુબાજુના પ્રકાશને સેન્સ કરતું હોય છે તેને લીધે તે પાવર પણ વાપરે છે એટલે તમારે મોબાઇલની બ્રાઇટનેસને જાતે જ ઓછી-વધારે કરવી જોઈએ અને ઓટો બ્રાઇટનેસને બંધ કરવું જોઈએ. સ્ક્રીન ટાઈમ આઉટ, આ ઓપ્શનને મોબાઈલની ભાષામાં સ્લીપ ટાઈમ કહેવામાં આવે છે પણ એનો મતલબ એવો થાય છે કે તમે તમારા મોબાઈલની સ્ક્રીન કેટલા સમય પછી બંધ કરવા માંગો છો. જો તમે સ્ક્રીન બંધ કરવાનો સમય ઓછામાં ઓછો રાખો છો તો તમારી બેટરીનું આયુષ્ય વધી શકે છે. ઘણી વાર એવું થાય છે કે તમે જો સ્ક્રીન બંધ થવાનો સમય વધારે રાખ્યો હોય અને તમે મોબાઇલની સ્ક્રીન બંધ કરવાનું ભૂલી જાવ તો તમારે તે સમય સુધી મોબાઈલ ચાલુ રહેશે અને બેટરી વપરાતી રહેશે. પાવર સેવિંગ મોડ, તમે બધાએ જ પાવર સેવિંગ મોડનું નામ સાંભળેલું હશે. આ ફીચર અત્યારના લેટેસ્ટ ફોનમાં આપેલું જ હોય છે. જ્યારે તમારા ફોનમાં વીસ ટકા ચાર્જિંગ હોય ત્યારે તમે ફોન વધારે સમય સુધી ચલાવવા માટે તેનો ઉપયોગ કરી શકો છો. આ ઓપ્શનનો ઉપયોગ કરવા માટે તમારે ફોનમાં પાવર સેવિંગ મોડનું ફીચર ચાલુ કરવાનું હોય છે. આ મોડ તમારા ફોનમાં જે જરૂરી ન હોય તેવી ઓપ્શન અને બેકગ્રાઉન્ડ એપને બંધ કરી દે છે જેથી બેટરી વધારે સમય ચલાવી શકાય. આનો મુખ્ય ફાયદો એ છે કે તમારી પાસે ચાર્જર ના હોય તો તમે લાંબા સમય સુધી ફોનને વાપરી શકો છો. બેટરી સો ટકા ફુલ ચાર્જ કરવી નહી. અપૂરતા નોલેજને લીધે ઘણા લોકો હંમેશા પોતાના ફોનની બેટરી સો ટકા સુધી ફુલ ચાર્જ કરે છે પણ મિત્રો તમારે આવું ન કરવું જોઈએ. કોઈ પણ બેટરી હોય તેની એક ચાર્જિંગ સાયકલ હોય છે અને આ ચાર્જિંગ સાયકલ ઝીરો ટકા થી સો ટકા સુધી તમે ચાર્જ કરો એટલે એક સાયકલ તમારી પુરી થઈ જાય છે. ઘણા બધા તારણ પરથી એવુ સાબિત થયુ છે કે બેટરી કોઈ દિવસ ફૂલ ચાર્જ ન કરવી જોઈએ. જો તમે આવું કરો છો તો લાંબા સમયે તમારી બેટરીનું આયુષ્ય ઓછું થઈ જાય છે. ચાર્જિંગ ઓછું થઈને વીસ ટકા આવે એટલે તમારે મોબાઇલ ચાર્જ કરવાનું ચાલુ કરવું જોઈએ અને નેવું થી પંચાણું ટકા સુધી ચાર્જ તમે કરી શકો છો. અમુક ફોનમાં એવા ફીચર પણ આવે છે જેનાથી જો તમારો ફોન સો ટકા ફુલ ચાર્જ થઈ જાય તો તે તેની જાતે